બંને પોતપોતાના વેડિંગ આઉટફિટમાં અદભૂત લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'એડિટિંગ ટૂંક સમયમાં વાસ્તવિકમાં ફેરવાશે'. તો બીજાએ લખ્યું છે કે, 'મને લાગ્યું કે બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા'. વર્ષ બે હજાર અઠાર માં એક તેલુગુ ફિલ્મમાં રશ્મિકા અને વિજયની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. આ પછી બંને ઘણીવાર વેકેશન, ઈવેન્ટ્સ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા છે. જો કે એક ઈન્ટરવ્યુમાં વિજયે રશ્મિકાને પોતાની એકમાત્ર સારી ફ્રેન્ડ પણ ગણાવી હતી. અરે બાપ રે! 'તારક મહેતા' શો ના બબીતાજીને નડ્યો અકસ્માત,સમાચાર સાંભળી રડી પડ્યા ચાહકો. ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેકનો ફેવરિટ છે. શોમાં જોવા મળેલી ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતા પાત્રો ચાહકોને ખૂબ જ પસંદ છે. બબીતાજી તેમાંથી એક છે. અભિનેત્રી મુનમુન દત્તા બબીતા જીનું પાત્ર ભજવી રહી છે. આ દિવસોમાં મુનમુન જર્મનીમાં એન્જોય કરી રહી છે. દરમિયાન, તેણે જણાવ્યું કે તેનો અકસ્માત થયો હતો. પહેલા ચંપકચાચા ને હવે બબીતાજીનું અકસ્માત થતા ચાહકો રડી પડ્યા હતા. બબીતાજીનો થયો અકસ્માત: મુનમુન દત્તાને જર્મનીમાં એક નાનો અકસ્માત થયો છે. તેણે ખુદ ઈન્સ્ટાગ્રામની મદદથી ફ્રેન્ડ્સ ને આ સમાચાર આપ્યા છે. ટ્રાવેલર મુનમુન દત્તાએ લગભગ એક અઠવાડિયા પહેલા તેની યુરોપ ટ્રીપ શરૂ કરી હતી. તે હાલમાં જ સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીની મુલાકાતે ગઈ છે. પરંતુ કમનસીબે અભિનેત્રી જર્મનીમાં અકસ્માતનો ભોગ બની હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુનમુન દત્તાએ જણાવ્યું કે, 'મારો જર્મનીમાં એક નાનો અકસ્માત થયો હતો. મારા ડાબા ઘૂંટણમાં ખૂબ જ ઈજા થઇ છે. તેથી મારે મારી ટ્રીપને વચ્ચે જ મુકીને ઘરે પાછા આવવું પડશે. આ સાથે તેણે તૂટેલા દિલ વાળું ઈમોજી પણ મુક્યું છે. સ્વાભાવિક છે કે મુનમુન અચાનક ટ્રીપ ખતમ થવાની ખુશી જ નથી. જર્મની પહેલા મુનમુન સ્વિટ્ઝર્લેન્ડમાં હતી. બે દિવસ પહેલા મુનમુન સ્વિટ્ઝર્લેન્ડના ઈન્ટરલેકનથી જર્મની જવા માટે ટ્રેન પકડી હતી. તેણીએ જ્યારે તે કોઈના ઘરે હોમસ્ટે કરી રહી હતી ત્યારે તેણે જે સ્વાદિષ્ટ ભોજન લીધું હતું તેની તસવીર પણ શેર કરી હતી.